તે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની રચનાને મોટા પ્રમાણમાં સંતુલિત કરે છે. તેના અનેક ઘરો માત્ર તેની લોકપ્રિયતામાં વધારો કરે છે. તેમની એકરની એસ્ટેટ, જે "શ્રી જડ્ડુના ફાર્મહાઉસ" તરીકે ઓળખાય છે, તે આધુનિક સમકાલીન કોટેજ અને અતિવાસ્તવ, ચમકદાર સફેદ કમ્પાઉન્ડથી ઘેરાયેલી છે. ફાર્મહાઉસ તેના સોશિયલ મીડિયા પેજ પર દર્શાવવામાં આવ્યું છે. તેઓ બધાને એક ઉત્તમ અનુભૂતિ છે, અને જૂની સજાવટ, પેટર્ન અને સામગ્રી જેવી શાહી વિગતો પરંપરાગત વૈભવી દેખાવમાં ઉમેરો કરે છે. તેમનું પાત્ર મેદાન પર અને મેદાનની બહાર તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવે છે. મુંબઈમાં રોહિત શર્મનું ઘર ભવ્ય અને સર્વોપરી બધી વસ્તુઓ પ્રત્યેના તેમના પ્રેમની સાક્ષી આપે છે. એક મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો ઉત્તમ રેકોર્ડ ધરાવનાર ક્રિકેટર તરીકે, ક્રિકેટર જાણે છે કે કેવી રીતે રમવું અને સ્ટાઇલમાં પણ રહેવું. રોહિત શર્મા, જેણે રિતિકા સજદેહ સાથે ખુશીથી લગ્ન કર્યા છે, તેઓ સાથે મળીને મુંબઈમાં એક ભવ્ય એપાર્ટમેન્ટના માલિક છે. જો તમે તમારા મનપસંદ ક્રિકેટ સ્ટાર કેવી રીતે જીવે છે તે જાણવા માટે ઉત્સુક છો, તો અમે તમને મુંબઈમાં તેના આકર્ષક એપાર્ટમેન્ટની વર્ચ્યુઅલ ટૂર પર લઈ જઈએ છીએ.